અને તેનો અર્થ એ છે કે કુશળતા હંમેશાં પૂરતી નથી કારણ કે સિસ્ટમ ખૂબ જ ઝડપથી બદલાતી રહે છે. તેથી તેનો અર્થ શું છે કે તે વિશ્વમાં એક મોટી રકમ છે જે તે પ્રકારની આગાહીની અવગણના કરે છે. તેથી જ બેંક ઓફ ઇંગ્લેંડ કહેશે, "હા, બીજો ક્રેશ થશે પરંતુ આપણે જાણતા નથી કેમ અથવા ક્યારે." બધા જાણીએ છીએ કે હવામાન પરિવર્તન વાસ્તવિક છે પરંતુ અમે આગાહી કરી શકતા નથી કે ક્યાં જંગલની આગ ફાટી નીકળશે અને અમને ખબર નથી કે કઈ ફેકટરીઓ પૂર તરફ જઈ રહી છે. તેથી જ કંપનીઓ આંખ આડા કાન કરે છે જ્યારે પ્લાસ્ટિકની સ્ટ્રો અને બેગ અને પાણીની બૉટલ સ્ટેપલ્સથી રાતોરાત નકારી કાઢવા જાઓ અને સામાજિક પરેશાનીમાં પરિવર્તન આવે ત્યારે તારાઓને પેરૈયામાં ફેરવે છે અને સાથીદારોને આઉટકાસ્ટમાં. બદલાતા વાતાવરણમાં ખૂબ આગાહી, કાર્યક્ષમતા ફક્ત અમને મદદ કરશે નહીં, તે ખાસ કરીને આપણી અનુકૂલન અને પ્રતિક્રિયા ક્ષમતાને ઘટાડે છે. તેથી જો કાર્યક્ષમતા અમારા માર્ગદર્શક સિદ્ધાંત નથી તો ભવિષ્યને સંબોધિત કરવું કઈ રીતે? કેવાં પ્રકારના વિચાર આપણને ખરેખર મદદ કરશે? કેવા પ્રકારની પ્રતિભાની બચાવ કરવાની આપણે ખાતરી રાખવી જોઈએ? મને લાગે છે કે ભૂતકાળમાં આપણે સમય સંચાલન વિશે વિચારવાં ટેવાયેલા હતા. હવે આપણે માત્ર અમુક કિસ્સામાં જ વિચારવાનું શરૂ કરવું પડશે. ઘટનાઓ માટે તૈયાર કરવું તે સામાન્ય રીતે ચોક્કસ છે પરંતુ ખાસ કરીને અસ્પષ્ટ રહે છે. આનું એક ઉદાહરણ, રોગચાળાની તૈયારી માટેનું ગઠબંધન સી.ઈ.પી.આઈ છે. આપણે જાણીએ છીએ કે ભવિષ્યમાં વધુ રોગચાળો હશે પણ આપણે ક્યાં, ક્યારે અથવા શું જાણતા નથી. તેથી અમે યોજના કરી શકતા નથી પરંતુ અમે તૈયાર કરી શકીએ છીએ. તેથી સી.ઈ.પી.આઈ બહુવિધ રોગો માટે બહુવિધ રસીઓ વિકસિત કરી રહી છે. જાણે છે કે તેઓ આગાહી કરી શકતા નથી જે રસીઓ કામ કરશે અથવા કયા રોગો ફાટી નીકળશે. તો તેમાંથી કેટલીક રસીનો ઉપયોગ નહીં થાય. તે બિનકાર્યક્ષમ છે પરંતુ તે મજબૂત છે કારણ કે તે વધુ વિકલ્પો પ્રદાન કરે છે અને તેનો અર્થ એ છે કે આપણે એક તકનીકી નિરાકરણ નિર્ભર નથી. રોગચાળો પ્રતિભાવ પર ભારે આધાર રાખે છે એ લોકો પર જે એકબીજાને જાણે છે અને વિશ્વાસ કરે છે. જ્યારે રોગચાળો ફાટી નીકળે છે ત્યારે સમય હંમેશા ઓછો હોય છે. તેથી સી.ઈ.પી.આઈ સંબંધો, મિત્રતા, જોડાણો વિકસાવી રહી છે તે જાણીને કે કેટલાકનો ક્યારેય ઉપયોગ નઈ થઈ શકે.